આને તમારા ખાતામાં લો અને કાળા લાકડાથી દિવાલોનું નવીનીકરણ કરીને તમારું નિવેદન આપો. ફ્લોર માટે, તમે ઘાટા રંગના લાકડાનો પણ ઉપયોગ કરી શકો છો, પરંતુ કાળો નહીં. બ્લેક વૂડ્સ દિવાલ સાથે તમારું નિવેદન બનાવો દિવાલોને સફેદ રંગમાં રંગો જો તમે તમારી બાલ્કનીની દિવાલોને સફેદ રંગમાં દોરો છો, તો તમે ન્યાય કરી રહ્યાં છો. સામાન્ય રીતે, લોકો જાળવણી ખર્ચને કારણે બાલ્કનીની દિવાલોને સફેદ રંગ આપતા નથી, પરંતુ જો તમે તેને જાળવી શકો છો, તો આગળ વધો. દાયકાઓથી બાલ્કનીની દિવાલોનો એકમાત્ર રંગ સફેદ રહ્યો છે. તમે તમારી ઓફિસની જગ્યાઓમાં પણરંગનો ઉપયોગ કરી શકો છો. બાલ્કનીની દિવાલોને સફેદ રંગથી સજાવો તમારા ઘર માટે આઉટડોર સજાવટના વિચારોપેશિયો સજાવટ સહિત, શહેરમાં એક એપાર્ટમેન્ટ માટે નાના બાલ્કની ગાર્ડન વિચારો, નવીનતમ છબીઓ સાથે એપાર્ટમેન્ટ્સ માટે અમેઝિંગ બાલ્કની ડિઝાઇન વિચારો, ટોચના સ્ટીલ બાલ્કની રેલિંગ ડિઝાઇન વિચારોતમારા ઘરની સજાવટ માટે છબીઓ, તમારા ઘર માટેગ્રીલ ડિઝાઇન આઇડિયાનો ઉપયોગ કરો, છબીઓ સાથે એપાર્ટમેન્ટ્સ માટે ટોચની બાલ્કની ગ્રીલ ડિઝાઇન, તમારા ઘર માટે ટોચના હાઉસ બાલ્કની ડિઝાઇન વિચારો, તમારા ઘર માટેફ્રન્ટ બાલ્કની ડિઝાઇન વિચારો તપાસો, સુથિંગ ગ્રીન કલરમાં બાલ્કનીની દિવાલો બાલ્કની દિવાલના ઘણા વિચારોમાંથીકંઈક અલગ અને અસામાન્ય હોઈ શકે છે. તમે બાલ્કનીની દિવાલો પરરંગ લગાવીને લીલી પ્રકૃતિ માટે તમામ પ્રેમ બતાવી શકો છો. જો જરૂરી હોય તો કેટલાક છોડને વધુ જીવંત બનાવવા માટે લટકાવો. તમારી બાલ્કનીની દિવાલોને ગ્રીન સાથે જીવંત બનાવો.દિવાલોને રસ્ટી અને અનપોલિશ્ડ લુક આપો. ચલકતી અને સારી દેખાતી દરેક વસ્તુ હંમેશા કલાત્મક હોતી નથી. દિવાલોનો જૂનો કાટવાળો અને પોલીશ વગરનો રંગ તેમની દિવાલને વિન્ટેજ લુક આપી શકે છે. તમારે માનવું પડશે કે બાલ્કની દિવાલનીપ્રકારની ડિઝાઇન હવે ટ્રેન્ડમાં છે. કલાત્મક બાલ્કની વોલ બનાવો દિવાલમાં ઇંટોની રચના આપણે ઘણી જગ્યાએ જોયું છે કે કેવી રીતે દિવાલોને ઈંટના રંગમાં ડિઝાઇન કરવામાં આવે છે. ઇંટોના રંગ સાથે ઇંટોનો આકાર બનાવો, નહીં તો તમે વાસ્તવિક ઇંટોને પોલિશ કરી શકો છો અને તેને ત્યાં સેટ કરી શકો છો. ઓર્ગેનિક દેખાવા માટે કેટલાક વૃક્ષો વાવો. બાલ્કનીની દિવાલો માટે રચાયેલ ઇંટો દિવાલો માટે મહાન ઉપયોગી સ્ટીકરો અમારી પાસે હવે સ્ટીકરો વડે ડિઝાઇન કરેલી આધુનિક દિવાલો છે. સ્ટીકરો ઓછાવત્તા અંશે અલગ અલગ ડિઝાઈન અને સ્ટાઈલ આપે છે, જે તમારી દિવાલને પહેલા કરતા વધુ સ્ટાઇલિશ બનાવી શકે છે. સ્ટીકરોદિવાલોને સરળતાથી ડિઝાઇન કરવા માટે ખર્ચ-અસરકારક પ્રક્રિયો પ્રક્રિયાઓમાંની એક છે. દિવાલો ડિઝાઇન કરવા માટે સ્ટીકરો ખર્ચ-અસરકારક પ્રક્રિયા છે બ્રાઉન મડ-જેવા રંગમાં દિવાલો ડિઝાઇન કરો જ્યારે તમને તક મળે ત્યારે કંઈક અલગ બનાવો. નવીન બ્રાઉન મડ-ટાઈપ કલર અને તમને સ્ટાન્ડર્ડ